તેમ છતાં, મધ્યમ વર્ગના પરિવારો ટકી રહેવા માટે સંઘર્ષ કરીને વેતન મેળવે છે જે લગભગ ચાલીસ વર્ષથી હલી પણ ન ન હતી નવા-ઉદારદારી અર્થશાસ્ત્રીઓ સતત ચેતવણી આપે છે, અસ્તવ્યસ્ત રીતે હેરાન કરે છે, કઠોરતા અને વૈશ્વિકરણ માટે યોગ્ય પ્રતિસાદ ત્યાં પણ વધુ તપસ્યા અને વૈશ્વિકરણ છે. તો સમાજે શું કરવાનું છે? સારું, તે મારા માટે ખૂબ સ્પષ્ટ છે કે આપણે શું કરવાનું છે. આપણને એક નવા અર્થશાસ્ત્રની જરૂર છે. તેથી, અર્થશાસ્ત્રનું વર્ણન નિરાશાજનક વિજ્ઞાન ના રૂપમાં કર્યું છે અને સારા કારણોસર માટે કારણ કે આજે જે શીખવવામાં આવે છે, તે કોઈ વિજ્ઞાન નથી. આ બધા શ્રેષ્ઠ ગણિત હોવા છતાં હવે આપણે જાણીએ છીએ કે અર્થશાસ્ત્ર જેણે મને ખૂબ શ્રીમંત બનાવ્યો, ફક્ત ખોટું ન હોઈ શકે, તે પછાત છે, કારણ કે તે બહાર આવ્યું છે તે મૂડી નથી તેનાથી આર્થિક વિકાસ થાય છે, તેઓ લોકો છે; અને તે સ્વાર્થીજ નથી જે જાહેર હિતને પ્રોત્સાહન આપે છે. આ પારસ્પરિકતા છે, અને તે સ્પર્ધાજ નથી જે આપણી સમૃદ્ધિમાં વધારો કરે છે. તે સહકાર છે. આપણે જે જોઈ શકીએ છીએ તે એવું અર્થશાસ્ત્ર છે જે ન તો તટસ્થ છે કે ન શામેલ છે. આ સામાજિક સહયોગ ના ઉસ સ્તર ને જાળવી શકતું નથી. આધુનિક સમાજને આગળ વધારવામાં સક્ષમ કરવા માટે જરૂરી. તો આપણે ક્યાં ચૂકી ગયા? ઠીક છે, તે બહાર આવ્યું છે અને સ્પષ્ટ છે તે દેખાય છે. મૂળભૂત ધારણાઓ કે જે નવા ઉદારદારી આર્થિક સિદ્ધાંત પર થી પસાર થાય છે, તેઓ માત્ર ઉદ્દેશ્યથી ખોટા છે અને તેથી આજે હું પેહ પેલા કેટલીક ખોટી ધારણાઓ લેવા માંગુ છુ અને પછી વર્ણન કરુ છુ કે વિજ્ઞાન અનુસાર સમૃદ્ધિ ખરેખર ક્યાંથી આવી. તો નવઉદારવાદી આર્થિક ધારણા નંબર એક છે તે બજારમાં એક સમયની વ્યવસ્થા છે જેનો અર્થ થાય છે અર્થતંત્રમાં એક વસ્તુ, જેવી કે મજૂરી ઉપર જાય છે, તો અર્થ વ્યવસ્થામાં બીજી વસ્તુ, જેમ કે રોજગાર નીચે જાય છે. ઉદાહરણ તરીકે; સિએટલમાં જ્યાં હું રહું છુ, જ્યારે બેહજાર ચૌદ મા અમે તમારા દેશ નિર્માણ કર્યું ત્યારે ન્યુનમ વેતન પંદર ડોલર પાર કર્યું. તો નવયુદારવાદી તમારો પ્રવાશ પર ઉત્તેજિત થઈ ગયા. તેમણે ચેતવણી આપી "જો તમે મજૂરીના ભાવ વધમા વધારો કરો, તો વ્યવસાય આને ઓછું ખરીદસે." હજારો ઓછા વેતનવાળા શ્રમિક તેમની નોકરી ખોઈ નાખસે, રેસ્ટ્રોરંટ બંધ થઈ જસે. આ હોવા છતા તેઓએ આ ન કર્યું. આકસ્મિક રીતે બેરોજગારીનો દર ઘટી ગયો. સિએટલમાં રેસ્ટોરન્ટનો ધંધોમાં ઉથલપાથલ આવી કારણકે ત્યાં કોઈ સંતુલન નહોતુ.